તેણી જાતે જ ટ્વિટ કરે છે અથવા કોઈના દ્વારા તે પૂર્ણ કરે છે? જવાબ: દીદી પોતે જ ટ્વીટ્સ કરે છે, ખૂબ જ એક્ટિવ રહે છે, દિવસભર ગાય છે પણ રિયાઝને પહેલાંની જેમ તનપુરા સાથે નથી લેતી. તે જાતે રસોઇ કરે છે અને બધા બાળકોને ખવડાવે છે. જ્યારે આશાના બાળકો આવે છે, ત્યારે તેઓ તેમને જે ગમે છે તે બનાવે છે. આજે પણ, જો અમને કોઈ સમસ્યા હોય, તો અમે હજી પણ તેમની પાસે જઇએ છીએ. હદયનાથને પોતાનો પુત્ર માને છે, જ્યારે તેની માતા અને બાબા ગયા, ત્યારે દીદીએ તેનું સ્થાન લીધું. તે એક જ માતા છે, તે બાબા છે. જો આપણી બહેન આપણા ખોટા કાર્યો પર ગુસ્સે થઈ જાય છે, તો તે પોતાની ઉપર ગુસ્સો ઉતારે છે પરંતુ આપણી ઉપર નહીં. અમને ક્યારેય ઠપકો આપ્યો નહીં. હું, આશા કે ઉષા એક બીજા વચ્ચે ઝઘડો કરે છે, તેઓ એક જ સમજાવે છે.. સવાલ: તમે લગ્ન પછી ગીત છોડી દીધું, શું લતાજીએ તમને કહ્યું ન હતું કે તમારે ગીત ગાવું જોઈએ? જવાબ: ના, દીદીએ સાચું કહ્યું, તમે પરિણીત છો, ગાવાનું નથી ઇચ્છતા, ગાતા નથી અને જો તમારે કંઇક કરવું હોય તો. મેં સંગીત દિગ્દર્શન શરૂ કર્યું. બાળકોનાં ગીતો બનાવો. મારા બાળકો રચના અને દિપક હતા. તેણે તે ગીતો ગાયાં. જ્યારે આશા અથવા દીદી તે સમયે બાળકોના ગીતો ગાતા હતા, ત્યારે હું વિચારતી હતી કે, તેમના ગીતોમાં વડીલોની આવી લાગણી હોતી નથી.. સવાલ: લતા મંગેશકર એક જીવંત દંતકથા છે, તેણે બધું જ મેળવી લીધું છે, પરંતુ શું તેની કોઈ ઇચ્છા બાકી છે? જવાબ: ના, તેઓને બધું મળી ગયું છે, તેમ છતાં તેમનું નસીબ એટલું સારું છે કે આપણે બધા સાથે છીએ. લોકો કેટલું કહે છે કે આશા દૂર થઈ ગઈ છે કંઈ નથી આપણે બધા સાથે છીએ અને જેની જરૂર છે.